શોધો. વોટરફોલ પેઇન્ટિંગ્સ સકારાત્મક ઉર્જાને ચેનલાઇઝ કરે છે પાણીને પૈસા સાથે જોડાણ છે. વોટરફોલ પેઇન્ટિંગ્સ દિવાલ પર લટકાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. જ્યારે સકારાત્મકતાનો પ્રવાહ હોય છે, ત્યારે સમૃદ્ધિ અને પુષ્કળ સંપત્તિ આવે છે. તેજસ્વી-ગુલાબી ફૂલોથી ઘેરાયેલો ધોધ વોટરફોલ પેઇન્ટિંગની દિશા જ્યારે તમે પેઇન્ટિંગની સામે ઉભા છો, ત્યારે ધોધ તમારી તરફ ઇશારો કરે છે. વૈકલ્પિક રીતે, ધોધની દિશા તમારા ઘરના કેન્દ્ર તરફ હોવી જોઈએ. જો આગળનો દરવાજો મધ્યમાં હોય અને ડોરનોબ ડાબી બાજુએ હોય, તો ધોધની પેઇન્ટિંગ જમણી બાજુએ જવી જોઈએ. ધોધ મધ્યમાં હોવો જોઈએ તમારા ઘરમાં પાણી પ્રવેશવુંશુભ સંકેત છે વોટરફોલ પેઇન્ટિંગ ખરીદતી વખતે, વાસ્તુશાસ્ત્ર કહે છે કે પાણી તમારા ઘરમાં પ્રવેશી રહ્યું હોય તેવું દેખાવું જોઈએ. કારણ કે ઘરમાં પાણી પ્રવેશવુંશુભ સંકેત માનવામાં આવે છે. ઘરમાં પાણી પ્રવેશવુંશુભ સંકેત છે ઘર માટે વાસ્તુ ટિપ્સસારા કૌટુંબિક સંબંધો માટેપરિવાર માટે વાસ્તુ, ઘર માટે વાસ્તુનવા ઘર માટે મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ, સેપ્ટિક ટાંકીની જમણી સ્થિતિ માટે વાસ્તુ ટિપ્સ, કાર્યસ્થળ માટે વાસ્તુ ટિપ્સકારકિર્દી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે, તમારા પૈસાને સમજદારીપૂર્વક મેનેજ કરવા માટે વાસ્તુ ટિપ્સ, ચાઈનીઝ વાસ્તુચાઈનીઝ વાસ્તુમાં નિપુણતા મેળવવાના સરળ પગલાં, ઘરમાં ગણેશ મૂર્તિનું વાસ્તુ મહત્વ, વાસ્તુ ચક્રવસ્તુઓ તમારે જાણવી જોઈએ, મોટા વોટરફોલ પેઈન્ટીંગ ખરીદવાનું ટાળો જો વોટરફોલ પેઈન્ટીંગ જગ્યાની સરખામણીમાં મોટી હોય, તો તે રહેનારની વૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. તેની ઉદારતાને લીધે, તે જગ્યા પર જોરદાર રીતે વર્ચસ્વ જમાવી શકે છે અને તેની હકારાત્મક અસરને અટકાવી શકે છે જે અન્યથા તે પડી હોત. નાના ધોધની પેઇન્ટિંગ લટકાવો પેઇન્ટિંગ લટકાવવા માટે યોગ્ય સ્થાન ધોધની દિશા ઉત્તર-પૂર્વ તરફ નાણાકીય સ્થિરતા અને સારા નસીબનો સંકેત આપે છે. ઉત્તરીય દિવાલ પર વોટરફોલ પેઈન્ટીંગનો અર્થ પણ જીવનમાં ધન લાભ અને સંતોષ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાઓ સારા વિકલ્પો છે, કારણ કે તેમની તરફ પાણીનો પ્રવાહ નાણાકીય લાભ અથવા આવકમાં વધારો સૂચવે છે. પાણી પૂર્વ તરફ વહેવું જોઈએ દક્ષિણ-પૂર્વ દિશા ટાળો વોટરફોલ પેઇન્ટિંગ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો પેઇન્ટિંગને દક્ષિણપૂર્વ, દક્ષિણપશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાની સલાહ આપતા નથી. આમ કરવાથી ઝઘડાની વૃત્તિઓની સાથે સાથે ઘરની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. વાસ્તવમાં, દક્ષિણની દિવાલ પર લગાવવામાં આવેલ વોટરફોલ પેઇન્ટિંગ કબજેદારની પત્નીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વૃક્ષોથી ઘેરાયેલો સુંદર ધોધ વોટરફોલ પેઈન્ટીંગ માટે બેડરૂમ આદર્શ નથી બેડરૂમમાં વોટરફોલ પેઇન્ટિંગ નકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ કરી શકે છે. તેથીતમારા બેડરૂમમાં વોટરફોલ પેઇન્ટિંગ લટકાવવાનું ટાળવું વધુ સારું છે. વોટરફોલ પેઈન્ટિંગ્સ વિશેનીવાસ્તુ ટીપ્સ તેમના ઘરમાં રાખવાનું પસંદ કરતા લોકો માટે ઉપયોગી સાબિત થવી જોઈએ. એક રમણીય ધોધ